લલિત મોદીએ કહ્યું, " હું ભાગેડુ નથી, દુનિયા ફરી રહ્યો છું. ભારત સરકારની પહોંચ ઘણી લાંબી છે, તમે તેમની સાથે પંગો લઈ શકતા નથી. આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું કે, "મારા માટે ભાગેડુ શબ્દનો ઉપયોગ મીડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. મારા વિરુદ્ધ આજ સુધી કોઈ કેસ નથી." ન્યૂઝ એજન્સી ને ગુરુવારે આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, "કે હું બિલકુલ પણ ભાગી રહ્યો નથી. હું આખી દુનિયામાં ફરી રહ્યો છું. જો હું ભાગી રહ્યો હોત, તો તમે મને ક્યાંક ને ક્યાંક પકડી જ લેત. ભારત સરકારની પહોંચ ઘણી લાંબી છે. તમે ભારત સરકાર સાથે પંગો લઈ શકતા નથી. અને મારો આવો કોઈ ઇરાદો પણ નથી." આઈપીએલ વિશે તેમણે કહ્યું કે, "હું આને લઈને હંમેશાથી ઉત્સાહી રહ્યો છું. આખરે આઈપીએલ મારા બાળક જેવું છે. હું ભલે તેની સાથે જોડાયેલો હોઉં કે ન હોઉં, મને ફરક પડતો નથી. મારા પિતા સારા બિઝનેસમેન હતા, પરંતુ આજે મારા પરિવારને લલિત મોદીના કારણે ઓળખવામાં આવે છે." હવે વાંચો ઇન્ટરવ્યુમાં લલિત મોદીના સવાલ-જવાબ:- સવાલ: "તમે લઈને આવ્યા, તેને ફેમસ કર્યું અને ગાયબ થઈ ગયા. આ વિશે શું વિચારો છો?" જવાબ: "હું આજે પણ મેચ જોઉં છું. હું તેને લઈને હંમેશાથી પેશનેટ રહ્યો છું. મારા બાળક જેવું છે. હું તેની સાથે જોડાયેલો છું કે નહીં, તેનાથી મને ફરક પડતો નથી. મારા પિતા સારા બિઝનેસમેન હતા, પરંતુ આજે મારા પરિવારને લલિત મોદીના કારણે ઓળખવામાં આવે છે. હું ક્યાંય જાઉં છું તો લોકો મને ઓળખે છે. " સવાલ: "તમે ભારતની જ્યુડિશિયરી વિશે ઘણી વાતો કરી છે. તમારા માટે 'ભાગેડુ' શબ્દનો ઉપયોગ થાય છે. આ વિશે શું કહેશો?" જવાબ: "હું બિલકુલ પણ ભાગી રહ્યો નથી. હું આખી દુનિયામાં ફરી રહ્યો છું. જો હું ભાગી રહ્યો હોત, તો તમે મને ક્યાંક ને ક્યાંક પકડી જ લેત. ભારત સરકારની પહોંચ ઘણી લાંબી છે. તમે સરકાર સાથે પંગો લઈ શકતા નથી. અને મારો એવો કોઈ ઇરાદો પણ નથી. આપણા દેશમાં ક્યારેય સુનાવણી થતી જ નથી. ન્યાય મળે તો છે, પરંતુ તેમાં ઘણો વિલંબ થાય છે. મોડેથી મળતો ન્યાય પણ એક પ્રકારની સજા જ છે. મારી વિરુદ્ધ એક પણ કેસ નોંધાયો નથી. જો હું આટલો જ ખરાબ છું તો ઠીક છે, ભાઈઓ, જાઓ અને મારા પર મુકદ્દમો ચલાવો." સવાલ: "શું લલિત મોદી પોતાનું નામ નિર્દોષ સાબિત કરવા માટે ભારત પાછા ફરવાની યોજના બનાવી રહ્યા છે?" જવાબ: "ના, હવે મારી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. હવે પોતાને સાચા સાબિત